આપણું મોરબી.. આપણો રેડીઓ.. ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. એજ્યુકેશન હબ તરીકે વિકસી રહેલા મોરબીના વાલીઓને હવે પ્રિ સ્કૂલ માટે ચિંતા નહિ કરવી પડે, સમગ્ર ગુજરાતમાં છેલ્લા દસ વર્ષથી ભારતીય સંસ્કૃતિના મૂલ્યોના જતન સાથે ઈંગ્લીશ મીડીયમનું શિક્ષણ આપવામાં ચાણક્ય ગણાતી સંસ્થા "ચાણક્ય કિડ્સ સ્કૂલ" આગામી એપ્રિલ મહિનાથી મોરબી શહેરમાં પ્રિ સ્ફુલ શરૂ કરવા જઈ રહી છે. મોરબીમાં એજ્યુકેશન ક્ષેત્રે ક્રાંતિકારી બદલાવ આવ્યો છે અને હવે સ્થાનિક સંસ્થાઓની સાથેસાથે દેશવિદેશમાં શૈક્ષણિક ક્ષેત્રે ટોચનું નામ ધરાવતી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ પણ મોરબીમાં આગમન કરી ચુકી છે ત્યારે મોરબીમાં પ્રિ સ્કૂલ ક્ષેત્રે વાલીઓને સારો વિકલ્પ મળે તેવી રાજ્યની જાણીતી ચાણક્ય કિડ્સ સ્કૂલ આગામી એપ્રિલ માસથી મોરબીમાં શિક્ષણક્ષેત્રે ક્વોલિટી એજ્યુકેશન આપવા સજ્જ બની છે. પ્રિ સ્કૂલ ક્ષેત્રે મોરબીમાં નવો અધ્યાય શરૂ કરવા જઈ રહેલા ચાણક્ય કિડ્સ સ્કૂલના ફાઉન્ડર અમદાવાદના ભગવતી મેડમ તથા મોરબી બ્રાન્ચના પ્રિન્સિપાલ દિવ્યા મેમ સાથે મોરબી અપડેટ દ્વારા વાલીઓના માર્ગદર્શન માટે ખાસ વાતચીત કરી હતી જેમાં ભગવતી મેડમે જણાવ્યું હતું કે બાળકના ઘડતરમાં પ્રિ સ્કૂલ મહત્વનો પાયો છે,